પાટણ રેલવે સ્ટેશન ઉપર યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ ભરતસિંહ ડાભીએ વાઇફાઇ સેવાનો મંગળ પ્રારંભ કરાવ્યો હતો .એકવીસ મીટરે પહોચી ઉલ્લેખનીય છે કે નવા મોટર વ્હીકલ એક્ટના અમલ અંગે ગત સપ્તાહ મુખ્યત્રીના અધ્યક્ષસ્થાને ગૃહવિભાગ વાહન વ્યવહાર વિભાગ અને નાણા વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ટ્રાફીકના નવા નિયમો અંગેના તમામ પાસાની ચર્ચા કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું છે કે સૂર્ય ગુજરાત અન્વયે આવનારા ત્રણ વર્ષમાં આઠ લાખ સોલાર રૂફટોપ થકી એક હજાર પાંચ સો મેગાવોટ સૌર વીજ ઉત્પાદનનો ગુજરાતનો લક્ષ્યાંક છે. રાજ્યમાં આ વર્ષે બે લાખ કુટુંબોને સોલાર રૂફટોપ યોજનામાં આવરી લેવાશે કોમન. સર્વિસ સેન્ટર ખાતે ચૌદ થી સાઈઠ વર્ષની ઉંમર ધરાવતા નાગરિકોને રજીસ્ટ્રેશનનો લાભ અપાયો છે. શ્રી રૂપાણી આજે બપોરે આયોજીત પત્રકાર પરિષદમાં ટ્રાફિકના નવા નિયમ મુજબ કેટલો દંડ લેવાશે તે અંગે જાહેરાત કરશે .સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની ઉપસ્થિતિમાં ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં રૂપિયાના ખર્ચે નવા કાયદાભવનનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી સડસઠ મેગાવોટની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી સાથે સોલાર રૂફટોપમાં દેશભરમાં પ્રથમ રહેશે. આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ ,દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી. મેનેજર ફૈઝલ ખાતુડાએ કહ્યું છે કે પસંદ થયેલા લાભાર્થીને ડિજીટલ વ્યવહારોમાં સાક્ષર બનાવવા દસ દિવસ સુધી તાલીમ અપાશે રાજયના બોતેર જળાશય છલકાઈ ચૂકયા છે. સૌરભભાઇ પટેલે કહ્યું છે કે સોલાર રૂફટોપનો વ્યાપ જનજન સુધી વિસ્તારી સ્વચ્છસસ્તી અને સાતત્યપૂર્ણ વીજળી આપવા રાજ્યસરકાર પ્રતિબદ્ધ છે. આવનાર ત્રણ વર્ષમાં એક હજાર પાંચ સો મેગાવોટ સૌર વીજ ઉત્પાદનનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક હોવાનું જણાવતા ઉર્જામંત્રી સૌરભ પટેલ આજે ટ્રાફિકના નવા નિયમો તથા દંડની જાહેરાત થશે વર્ષ બે હજાર બાવીસ સુધીમાં દેશમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષમતાના પ્રધાનમંત્રીના નિર્ધારમાં ગુજરાત સોલાર રૂફટોપ યોજનાથી અગ્રેસર રહેશે .પ્રધાનમંત્રીએ કહ્યું કે વર્ષ બે હજાર ચૌદ માં કેન્દ્ર સરકારે પાક વિમા યોજનાના કાર્યક્ષેત્રનું વિસ્તણ કર્યું હતું .ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ નવ મી ફેબ્રુઆરી હોવાથી ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો રહ્યા છે તે ચિત્ર આવતીકાલે સાંજે સ્પષ્ટ થશે. ઉત્તરાખંડમાં હિમનદીનો કેટલોક હિસ્સો તૂટી પડતા ધૌલીગંગા નદીમાં આવેલા અચાનક પુરના લીધે જે જે વિસ્તારોમાં વ્યાપક નુકશાન થયું છે ત્યાં રાહત અને બચવા કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ગરીબોને વાજબી દરે અનાજ આપવાની યોજના પણ યથાવત્ રખાશે. દેશમાં અત્યાર સુધીમાં અઠ્ઠાવન લાખ બાર હજારથી વધુ લાભાર્થીઓને કોવીડની રસી આપવામાં આવી છે .ઈંગ્લેન્ડના પાંચ સો ઇઠ્યોતેર રનના જવાબમાં ભારતે ગઈકાલે છ વિકેટે બસ્સો સત્તાવન રન નોંધાવ્યા હતા.